દિવાલોને સુંદર નારંગી રંગથી સજાવો અને તમારી બાલ્કનીની દિવાલોને તમારા વિસ્તારમાં ખાસ બનાવો. સુંદર નારંગી રંગ ફરક લાવી શકે છે સ્પ્લેશ કેટલાક ઈન્ડિગો અથવા ડીપ બ્લુ કલર કંટાળાજનક દિવાલો તમારા મહેમાનના મનમાં તમારી નીરસ છાપ બનાવે છે. તમારી દિવાલોને સમુદ્ર જેવી રચના આપવા માટે ઈન્ડિગો અથવા વાદળી રંગોનો અમલ કરો. કદાચ તમે સમુદ્રને ચૂકી ગયા છો, પરંતુરંગ તમને દર વખતે તેને યાદ રાખવામાં મદદ કરશે. તમારા અને તમારા પરિવારના કેટલાક સુંદર ફોટા દિવાલો પર લટકાવો અને તેમને ડિઝાઇન કરો. બાલ્કનીની દિવાલોને બ્લુથી ડિઝાઇન કરો વુડ્સનો ઉપયોગ કરો જો તમારી પાસે લાકડું હોય તો દિવાલો માટે સિમેન્ટ અને ઇંટો શા માટે વાપરો? લાકડાની બનેલી દિવાલો મજબૂત હોય છે અને તેને ઓછા જાળવણી ખર્ચની જરૂર હોય છે. લાકડાની દિવાલો વર્ષો સુધી ટકી રહે છે અને તમને મૂલ્યનો અસરકારક ઉપયોગ આપે છે. ઘાટા રંગના વૂડ્સની દિવાલો ચૂનો રંગીન દિવાલો ચૂનોનો રંગ વર્ગ પૂરો પાડે છે અને લોકોને વિશ્વાસ અપાવવાની તેની રીત છે કે તે શ્રેષ્ઠ છે. જ્યારે પણ આપણેચૂનાના રંગ વિશે વિચારીએ છીએ અથવા જોઈએ છીએ ત્યારે આપણા હૃદયમાં એક સ્વાભાવિક તાજગી ભરાઈ જાય છે. લાઇમ કલર વડે દિવાલોમાં તાજગી લાવો કોરલ કલર સાથે પરફેક્ટ એક્સટીરીયર બનાવો બાહ્ય રંગ અથવા બાલ્કનીની દિવાલનો રંગ મહેમાનોને આકર્ષક અને આકર્ષક હોવો જોઈએ. કારણોસર, અમે તમારી દિવાલો માટે માત્ર વાઇબ્રન્ટ રંગો પસંદ કર્યા છે. તમારી દિવાલોમાં પરવાળાના ખડકોનોરંગ અજમાવો અને તેને એક વિશિષ્ટ દેખાવ આપો. તમારા બાહ્યને કોરલ રંગથી સજાવો દરેક ઈંટ માટે વિવિધ રંગો પસંદ કરો જો તમારી પાસે એક બાળક હોય અને તે અથવા તેણી તેની પોતાની બાલ્કનીની માંગ કરે, તો તમારે તેને પૂર્ણ કરવી પડશે. તેમની બાલ્કનીનો રંગ પણ તેમના જેવો, વધુ રંગીન હોવો જોઈએ. તેથી, દરેક ઈંટને ઉત્તેજક અને રંગબેરંગી બનાવવા માટે તેને અલગ રંગથી ભરી શકાય છે. બહુવિધ રંગો સાથે દિવાલો શણગારે છે પીળા અને વાદળીનું મિશ્રણ પીળો અને વાદળી સંયોજન છેલ્લા કેટલાક દાયકાઓથી અજાયબીઓનું સર્જન કરી રહ્યું છે. બે રંગોનું મિશ્રણ તમારી બાલ્કનીની દિવાલોને અનોખો દેખાવ આપી શકે છે. પીળા અને વાદળીને ભેગા કરો અને કંઈક અલગ બનાવો ગ્રે સાથે વિન્ટેજ લુક બનાવો જો તમે ક્યારેય ટીવી સ્ક્રીન પર સેલિબ્રિટીઓની બાલ્કનીની દિવાલો જોઈ હોય, તો તમે જાણો છો કે તેમની મોટાભાગની દિવાલો ગ્રે હોય છે. તમે તમારી બાલ્કનીની દિવાલને કલર પણ બનાવી શકો છો અને તેને દિવાલ પર વિન્ટેજ ટચ આપી શકો છો. ગ્રે સાથે અજાયબીઓ બનાવો મિન્ટ કલરની ફ્રેશનેસ લાવો કામ શરૂ કરવા માટે દરરોજ